ત્યારબાદ મને જ્યારે આશ્વાસન મળ્યું કે, કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ દેખાશે નહીં ત્યારે પુત્ર અભિનવની સાથે વાતચીત કરી હતી. તેને સમજાવીને ટ્રાયલમાં સામેલ કરાવ્યો હતો. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા સર્ચ પણ કરી શકો છો. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું. અડતાલીસ કલાકમાં મેઘરાજાએ મચાવ્યો ભારે તાંડવ- સાતનાં મોત. કેમ વધી રહી છે આંખ આવવાની ઘટના? જાણો 'આઈ ફ્લુ' થાય તો શું કરવું અને શું નહિ? વિશ્વને કોરોના મહામારીથી છુટકારો અપાવવા બસ વર્ષીય ભારતીય બાળકની અનોખી પહેલ- જાણીને ગર્વ થશે. હાલમાં કોરોના સામે સમગ્ર વિશ્વના ઘણા દેશોમાં રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે. અનેક દેશોની સરકારોએ અલગ-અલગ રસીના ઈમર્જન્સી વપરાશને મંજૂરી આપવા માંડી છે. પરંતુ ઉતાવળે અમલમાં મૂકાયેલી રસીઓની અસરકારક્તા પર સવાલો ઊઠવા લાગ્યા છે. નોર્વેથી આશ્ચર્યજનક સમાચાર આવ્યા છે. સત્યાવીસ ડિસેમ્બરથી ત્યાં રસીકરણ અભિયાન શરૂ થયું. અત્યાર સુધીમાં ત્રીસ હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. પરંતુ રસી લાગુ કર્યા બાદ અત્યાર સુધીમાં ત્રેવીસ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પ્રશ્નમાં ફાઇઝરની રસી બનાવે છે. જોકે, આ ઘટનાઓ સામે આવ્યા પછી સરકારે આ બાબતને ચેતવણીજનક ગણવાનો ઈનકાર કરી દીધો છે, અને કોને રસી આપવી તે અંગેની બાબત પ્રત્યેક ડોક્ટર પર છોડીને રસીકરણ અભિયાન ચાલુ રાખ્યું છે. મૃત્યુ પામેલા ત્રેવીસ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ પછી, તેની તબિયત સુધારવાને બદલે, તે વધુ ખરાબ થઈ ગઈ. નોર્વેજીયન સરકાર કહે છે કે બીમાર અને વૃદ્ધો માટે કોરોના રસીકરણ ખૂબ જોખમી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીં તેર લોકો છે જેઓ રસીના કારણે મરી ગયા છે. અન્ય લોકોનાં મોતનાં કારણો અંગે તપાસ ચાલુ છે. સરકારનું કહેવું છે કે, જે લોકો બીમાર છે અને વૃદ્ધ છે તેમના માટે રસી ઘણી જોખમી બની શકે છે. મૃતક ત્રેવીસ લોકોમાંથી તેર લોકોનાં મોત રસીના કારણે જ થયા હોવાની પુષ્ટી થઈ ગઈ છે. અન્ય લોકોના મોતની તપાસ ચાલી રહી છે. નોર્વેજિયન ઈન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થનું કહેવું છે કે, જે ઘણા વૃદ્ધ છે અને લાગે છે કે તેમના જીવનનો થોડોક જ સમય બાકી છે તેવા લોકોને રસીનો લાભ કદાચ જ મળી શકે અથવા મળે તો ઘણો ઓછો મળવાની સંભાવના છે. બીજી બાજુ રસીની આડ અસરના ઓગણત્રીસ કેસ પણ સામે આવી ચૂક્યા છે. વૃદ્ધોને આડઅસર નોર્વેજીયન સંસ્થાના જાહેર આરોગ્ય અનુસાર, સામાન્ય આડઅસરો વૃદ્ધો અને માંદા લોકો પર ભારે પડી છે. અત્યાર સુધી રસીના આડઅસરોના ઓગણત્રીસ કેસ નોંધાયા છે.